ચામડાની ખુરશીઓથી ઘરેલુંસીટરનું વિશાળ ડાઇનિંગ ટેબલ ધરાવે છે. ઉપરાંત, ડ્રાઇવિંગ રૂમમાં લોબીની જેમ ઊંચી બારીઓ છે. રૂમની સુંદરતામાં વધારો કરવા માટે બારીઓની સામે, સંપૂર્ણતા માટે તૈયાર કરાયેલ હાથીદાંત હાથીદાંતના પલંગ મૂકવામાં આવે છે. ઇન્સ્ટાગ્રામ પરપોસ્ટ જુઓ ન્યાસા દેવગન દ્વારા શેર કરવામાં આવેલી એક પોસ્ટ મોનોક્રોમેટિક સફેદ ભૂરા રંગછટા સાથે વિરોધાભાસી છે અજય દેવગન હાઉસની વિશાળ બાલ્કનીઓ લીલીછમ લીલોતરીથી ઘેરાયેલ, અજય દેવગન પરિવારના ઘરની જગ્યા ધરાવતી અને હવાદાર બાલ્કનીઓ થોડો સમય વિતાવવા, આગળના દૃશ્યનો આનંદ માણતી વખતે એક કપ ચા લેવા, પુસ્તક વાંચવા અથવા ચિત્રો ક્લિક કરવા માટે એક યોગ્ય સ્થળ છે. કાજોલ અને ન્યાસાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર તમે અજય દેવગનના ઘરનીબાલ્કનીને ઘણીવાર જોઈ શકો છો. ઇન્સ્ટાગ્રામ પરપોસ્ટ જુઓ કાજોલ દેવગન દ્વારા શેર કરાયેલ પોસ્ટ સારી રીતે વેન્ટિલેટેડ ઘર માટે એર બાલ્કનીઓ ઉપરાંત, અજય દેવગનના ઘરના પ્રવેશદ્વાર પાસે વિશાળ વરંડા છે. બહારથી ઘરની લોબીનું મંત્રમુગ્ધ કરનારું દૃશ્ય આપે છે તે વરંડા તેજસ્વી ચિત્રો ક્લિક કરવા અથવા તમારા પ્રિયજનો સાથે આરામ કરવા માટે યોગ્ય છે. આપણે સાંભળીએ છીએ કે વરંડામાં પણ સુંદર બેસવાની જગ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ જુઓ કાજોલ દેવગન દ્વારા શેર કરાયેલ પોસ્ટ લીલાછમ છોડ અને ઊંચા વૃક્ષો સાથેનો ઓટલો અજય દેવગન હાઉસની અન્ય સુંદર જગ્યાઓ એલિવેટરને અવગણી શકાય નહીં અજય દેવગન દરેક રીતે ભવ્ય છે. તે આધુનિક આર્કિટેક્ચર અને આરામ વિશે છે. સીડીની બાજુમાં એલિવેટર બધા મહેમાનો લઈ શકે તે માટે સંપૂર્ણપણે ખૂણા પર મૂકવામાં આવે છે. ઇન્સ્ટાગ્રામ પરપોસ્ટ જુઓ કાજોલ દેવગન દ્વારા શેર કરાયેલ પોસ્ટ એક એલિવેટર જે માત્ર કાર્યાત્મક નથી પણ સ્ટાઇલિશ પણ છે લિવિંગ રૂમમાં સુંદર રેક્લાઇનર કાજોલ તેના લિવિંગ રૂમના શાંત ખૂણામાં રિક્લાઇનર પર બેઠી છે લિવિંગ રૂમ જ્યાં કાજોલ બેઠી છે તે હૂંફાળું અને આવકારદાયક વાતાવરણ ધરાવે છે, જેમાં સુંવાળપનો સોફા અને વિશાળ ફ્લેટ-સ્ક્રીન ટીવી જગ્યા પર પ્રભુત્વ ધરાવે છે. પાછળ, અજય અને કાજોલ બંનેએ વર્ષોથી જીતેલા કેટલાક એવોર્ડ્સ પણ જોઈ શકાય છે. સરંજામ અલ્પોક્તિપૂર્ણ છતાં ભવ્ય લાગે છે, જેમાં લઘુત્તમ ઉચ્ચારો અને મ્યૂટ રંગછટા છે. છોડ અને ફૂલોવાળા નાના વિસ્તારો કાજોલ અને અજય દેવગન પ્રકૃતિ પ્રેમી છે. તેઓએ બહાર સુંદર છોડ અને વૃક્ષો અને ઘરની અંદર સુંદર ફૂલોવાળા છોડ વાવ્યા છે. ઇન્સ્ટાગ્રામ પરપોસ્ટ જુઓ કાજોલ દેવગન દ્વારા શેર કરાયેલ પોસ્ટ કાજોલ માત્ર તેની સાડીનહીં પરંતુ તેના ખૂબસૂરત ફૂલો પણ બતાવે છે ગૃહમાં તે પ્રિય ખૂણો આપણા બધાના ઘરમાં મનપસંદ ખૂણા હોય છે, અને કાજોલનો મનપસંદ ખૂણો સારી રીતે પ્રકાશિત હોય તેવું લાગે છે. આંશિક રીતે સૂર્યપ્રકાશ આવવા દે તેવા